દરેક કિસ્સામાં છોકરીઓ છોકરાઓ કરતા પાણી વધારે પસંદ કરે છે. પૈસા ખર્ચવાના કિસ્સામાં: જ્યારે પૈસા ખર્ચવાની વાત આવે છે, ત્યારે છોકરીઓ છોકરાઓ કરતા ઘણા પગલાઓથી આગળ હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ છોકરાએ પૈસા ખર્ચ કરવા પડે છે ત્યારે છોકરીઓ તેમાં વધુ આગળ હોય છે. કોઈના ખિસ્સાને કેવી રીતે ખાલી કરવું, આ એક છોકરીઓ પાસેથી શીખવું જોઈએ. ડાયટિંગ કરવાની ઘટનામાં: આ કિસ્સામાં, છોકરીઓ છોકરાઓ કરતા ઘણા પગલાઓ આગળ છે. તમે થોડા એવા છોકરાઓ જોયા હશે જેઓ પરેજી પાળતા હોય છે. પરંતુ તમને ઘણી છોકરીઓ મળશે જેઓ ડાયેટિંગ કરતા રહે છે. અને તે આ કામને ખૂબ સારી રીતે જાણે છે. લાગણીઓને કાબૂમાં રાખવી: તમે સારી રીતે પરિચિત હોવા જ જોઈએ કે છોકરીઓ તેમની લાગણીઓને નિયંત્રિત કરવાની દ્રષ્ટિએ નિકાસ કરવામાં આવે છે. જ્યાં છોકરાઓ તેમની લાગણીઓને કાબૂમાં રાખવામાં લગભગ અસમર્થ હોય છે. "આ કામો જે છોકરીઓ આરામથી કરે છે, પરંતુ છોકરાઓ માટે મુશ્કેલ છે". તમે જાણી ને ચોંકી જશો, પરંતુ છોકરીઓ આ કારણોથી છોકરાઓ સાથે કરે છે આજના જમાનામાં બધા જ યુવક અને યુવતીઓં એક બીજા સાથે પ્રેમ કરી સાથે ડેટ કરે છે, પણ હવે તેમાં સર્વે કરવામાં આવ્યો એટલે એમાં જાણવામાં આવ્યું છે કે યુવતીઓં તેના પોતાના સાઉ નહીવત શોખ માટે ડેટ કરે છે. જે નીચે વિગતેસર જણાવવામાં આવેલ છે. આજની પેઢીની જીવનશૈલી અને મોજશોખ બદલાઇ ગયા છે. આજની પેઢીની ઘણી મહિલાઓ રોમાંસ અને સંબંધો માટે નહીં, પરંતુ મફતના ભોજનનો આનંદ લૂંટવા માટે પણ ડેટ પર જાય છે. એક રિપોર્ટમાં આ વાત જાણવા મળી છે કે, ફિનોમિનાએ ફૂડી કૉલ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એક મહિલા કોઇ એવી વ્યક્તિને ડેટ કરે છે, જેની પાસે તે પ્રેમ માટે નહીં, પરંતુ મફતના ખોરાકનો આનંદ લેવા જાય છે.